સર્વેએ ઉમેર્યું કે આમળાનું નિયમિતપણે મસાલા તરીકે પણ સેવન કરી શકાય છે જેમ કે શાકભાજી, ગ્રેવી અને કરીમાં આમળા પાવડર ઉમેરી શકાય છે. સર્વે અનુસાર, બીટરૂટમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે હેયરના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે જેનાથી હેયરગ્રોથને વેગ મળે છે. ડોક્ટર બત્રાએ જણાવ્યું હતું કે, તેના ઉચ્ચ પોટેશિયમ, આયર્ન અને ઇલેક્ટ્રોલાઇટ મૂલ્યને લીધે, તે નબળા વાળને સુધારવામાં મદદ કરે છે અને તૂટવાનું જોખમ ઘટાડે છે. આ શાકભાજીનો આબેહૂબ લાલ રંગ વાળને કુદરતી રંગ આપે છે અને તેની ચમક વધારે છે. બીટરૂટને કચુંબર અથવા જ્યુસના રૂપમાં ડાયટમાં સામેલ કરી શકાય છે. તેનું નિયમિત સેવન કરી શકાય છે કારણ કે તે બ્લડ સર્ક્યુલેશનમાં પણ મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પાચનમાં મદદ કરે છે. મીઠો લીમડો, મીઠા લીમડામાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે કોષોના પુનર્જીવનમાં મદદ કરે છે અને તેથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે અને તેથી હેયરગ્રોથમાં મદદ કરે છે. ડોક્ટર બત્રાએ જણાવ્યું હતું કે, " તેલની માલિશ વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે, જે હેયરગ્રોથને ઝડપી બનાવે છે. તેમના એન્ટી-ફંગલ ગુણધર્મોને કારણે, તેઓ ખોપરી ઉપરની ચામડીને ચેપથી સુરક્ષિત કરે છે. મીઠા લીમડાના તેલનો ઉપયોગ શુષ્ક અને વાળની સારવાર માટે કરી શકાય છે. " આદુ માં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે જે વાળના મૂળ અને ફોલિકલ્સને ઉત્તેજન આપે છે જેનાથી વાળના વિકાસમાં વધારો થાય છે. વાળના મૂળમાં આદુના રસનો ઉષ્ણકટિબંધીય ઉપયોગ ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને વધારે છે અને વાળના વિકાસમાં પણ મદદ કરે છે, તે ડેન્ડ્રફને રોકવામાં પણ મદદ કરે છે. ડોક્ટર બત્રાએ જણાવ્યું હતું કે, "આદુનો રસ વાળ સાફ કરનાર એજન્ટ તરીકે વાપરી શકાય છે. તેમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે વાળના ફોલિકલ્સને નવા વાળ બનાવવા માટે ઉત્તેજિત કરે છે. ઉચ્ચ વિટામિન છ સામગ્રી ખોપરી ઉપરની ચામડીમાં ઓક્સિજનયુક્ત રક્ત પ્રવાહને નિયંત્રિત કરે છે, વાળના ફોલિકલના લેટેસ્ટને ઉત્તેજિત કરે છે. " એક્સપર્ટએ કહ્યું કે,ગ્રેવી અને શાકભાજી બનાવતી વખતે આદુને પેસ્ટના રૂપમાં આહારમાં સામેલ કરવામાં આવે છે. આદુનો ઉકાળો સહાયક ઘટક સાથે પણ ખાઈ શકાય છે.